મારું કામ આ વિચારો લેવાનું છે અને તેમને એનિમેશનમાં ફેરવો. આ મુશ્કેલ હોઈ શકે છે, કારણ કે તે પરમાણુઓ બહાર વળે છે કેટલીક સુંદર ઉન્મત્ત વસ્તુઓ કરી શકે છે. પરંતુ આ એનિમેશન સંશોધકો માટે ઉત્સાહી ઉપયોગી થઈ શકે છે તેમના વિચારો વાતચીત કરવા માટે આ પરમાણુઓ કેવી રીતે કાર્ય કરે છે. તેઓ પણ અમને મંજૂરી આપી શકે છે પરમાણુ વિશ્વ જોવા માટે તેમની આંખો દ્વારા. હું તમને કેટલાક એનિમેશન બતાવવા માંગું છું, હું જે માનું છું તેની ટૂંકી ટૂર કેટલાક કુદરતી અજાયબીઓ પરમાણુ વિશ્વના. પ્રથમ, આ રોગપ્રતિકારક કોષ છે. આ પ્રકારના કોષો જવાની જરૂર છે અમારા શરીરમાં આસપાસ ક્રોલ ક્રમમાં આક્રમણકારો શોધવા માટે પેથોજેનિક બેક્ટેરિયા જેવા. આ ચળવળ સંચાલિત છે મારા એક પ્રિય પ્રોટીન દ્વારા એક્ટિન તરીકે ઓળખાય છે, જે જાણીતું છે તેનો એક ભાગ છે સાયટોસ્કેલેટન તરીકે. અમારા હાડપિંજરથી વિપરીત, એક્ટિન ફિલેમેન્ટ્સ સતત હોય છે બાંધવામાં અને અલગ લેવામાં આવી રહી છે. એક્ટિન સાયટોસ્કેલેટન રમે છે અમારા કોષોમાં અતિ મહત્વની ભૂમિકાઓ. તેઓ તેમને આકાર બદલવાની મંજૂરી આપે છે, આસપાસ ખસેડવા માટે, સપાટીઓનું પાલન કરવું અને બેક્ટેરિયાને ગબ્લૂબ કરવા માટે. એક્ટિન પણ સામેલ છે એક અલગ પ્રકારની ચળવળમાં. આપણા સ્નાયુ કોષોમાં, એક્ટિન રચનાઓ આ નિયમિત ફિલામેન્ટ્સ રચે છે કે ફેબ્રિક જેવા દેખાય છે. જ્યારે આપણા સ્નાયુઓ સંકુચિત થાય છે, આ જંતુઓ એક સાથે ખેંચાય છે અને તેઓ પાછા જાય છે તેમની મૂળ સ્થિતિ પર જ્યારે તમારા સ્નાયુઓ આરામ કરે છે. સાયટોસ્કેલિટલના અન્ય ભાગો, આ કિસ્સામાં માઇક્રોટ્યુબ્યુલસ, લાંબા અંતર માટે જવાબદાર છે પરિવહન તેઓ વિશે વિચાર કરી શક્યા છે મૂળભૂત રીતે સેલ્યુલર હાઇવે કે જે વસ્તુઓ ખસેડવા માટે વપરાય છે કોષની એક બાજુથી બીજી તરફ. અમારા રસ્તાઓથી વિપરીત, માઇક્રોટ્યુબ્યુલ્સ વધવા અને સંકોચો, જ્યારે તેઓની જરૂર હોય ત્યારે દેખાય છે અને જ્યારે તેમનું કામ પૂર્ણ થાય છે ત્યારે અદૃશ્ય થઈ જાય છે. અર્ધ ટ્રકનું મોલેક્યુલર સંસ્કરણ પ્રોટીન યોગ્ય રીતે મોટર પ્રોટીન નામ આપવામાં આવે છે, જે માઇક્રોટ્યુબ્યુલ્સ સાથે ચાલે છે, ક્યારેક વિશાળ કાર્ગો ખેંચીને, ઓર્ગેનેલ્સની જેમ, તેમની પાછળ. આ ખાસ મોટર પ્રોટીન ડાયનેન તરીકે ઓળખાય છે, અને તે સક્ષમ હોવા માટે જાણીતું છે જૂથોમાં સાથે કામ કરવા માટે કે લગભગ જુઓ, ઓછામાં ઓછું મારા માટે, ઘોડાઓના રથની જેમ. જેમ તમે જુઓ છો, સેલ આ અવિશ્વસનીય છે બદલાતી, ગતિશીલ જગ્યા, જ્યાં વસ્તુઓ સતત હોય છે બિલ્ટ અને ડિસએસેમ્બલ થઈ રહી છે. પરંતુ આમાંની કેટલીક રચનાઓ અલગ લેવા મુશ્કેલ છે જોકે, અન્ય કરતા. અને વિશેષ દળો લાવવાની જરૂર છે